હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરવા માટે કુદરતી રીતે જીવનશૈલીમાં ફેરફાર અને સ્વસ્થ ટેવો અપનાવવી સામેલ હોઈ શકે છે. શું તમારે દવા વગર જ હાઈ બ્લડ પ્રેશરથી છૂટકારો જોઈએ છે? અહીં કેટલાક ઉપાયો આપ્યા છે જે મદદ કરી શકે છે: હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા અપનાવો આ સાત રીતો, તરત જ કંટ્રોલ થઈ જશે બીપી. વન. સ્વસ્થ આહાર: ફળો, શાકભાજી, આખા અનાજ, દુર્બળ પ્રોટીન અને ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનોથી સમૃદ્ધ સંતુલિત આહારનું પાલન કરો. સોડિયમ નું સેવન ઓછું કરો અને પ્રોસેસ્ડ અને તળેલા ખોરાકને મર્યાદિત કરો. નિયમિત વ્યાયામ કરો: દર અઠવાડિયે ઓછામાં ઓછી એક સો પચાસ મિનિટ માટે ઝડપી ચાલવું, તરવું અથવા સાયકલ ચલાવવી જેવી મધ્યમ એરોબિક કસરતોમાં વ્યસ્ત રહો. શારીરિક પ્રવૃત્તિ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે અને એકંદર કાર્ડિયોવેસ્ક્યુલર આરોગ્યને સુધારે છે. સ્વસ્થ વજન જાળવી રાખો: નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક આહારના સંયોજન દ્વારા તંદુરસ્ત શરીરના વજન માટે લક્ષ્ય રાખો. વધારાનું વજન ઓછું કરવાથી બ્લડ પ્રેશર ઘટાડવા પર નોંધપાત્ર અસર પડી શકે છે. આલ્કોહોલનું સેવન મર્યાદિત કરો: વધુ પડતા આલ્કોહોલનું સેવન બ્લડ પ્રેશર વધારી શકે છે. આલ્કોહોલના વપરાશને મધ્યમ સ્તર સુધી મર્યાદિત કરો. ધૂમ્રપાન છોડો: ધૂમ્રપાન અને તમાકુનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગમાં ફાળો આપી શકે છે. એકંદર કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સુધારવા માટે ધૂમ્રપાન છોડવું મહત્વપૂર્ણ છે. તણાવ ઓછો કરો: દીર્ઘકાલીન તાણ બ્લડ પ્રેશરમાં વધારો કરી શકે છે. તણાવ-ઘટાડવાની તકનીકોનો અભ્યાસ કરો જેમ કે ઊંડા શ્વાસ લેવાની કસરતો, ધ્યાન, યોગ અથવા શોખમાં વ્યસ્ત રહેવું જે આરામને પ્રોત્સાહન આપે છે. કેફીનનું સેવન મર્યાદિત કરો: જ્યારે કેફીનનું મધ્યમ સેવન સામાન્ય રીતે સલામત હોય છે, ત્યારે વધુ પડતું સેવન અસ્થાયી ધોરણે બ્લડ પ્રેશર વધારી શકે છે. કોફી, ચા, એનર્જી ડ્રિંક્સ અને ચોકલેટ જેવા સ્ત્રોતોમાંથી તમારા કેફીનનું સેવન મોનિટર કરો. અચાનક બીપી લો થાય ત્યારે શું કરવું? વન. પ્રવાહી અને મીઠાના સેવનમાં વધારો: સારી રીતે હાઇડ્રેટેડ રહેવાથી અને મીઠાનું સેવન થોડું વધારવું બ્લડ પ્રેશર વધારવામાં મદદ કરી શકે છે. ટુ . નાનું, વારંવાર ભોજન લો: આખા દિવસમાં નાનું, વધુ વારંવાર ભોજન લેવાથી ખાધા પછી બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો થતો અટકાવી શકાય છે. થ્રી . લાંબા સમય સુધી ઊભા રહેવા અથવા બેસવાનું ટાળો: જો તમને લો બ્લડ પ્રેશરનાં લક્ષણોનો અનુભવ થાય, તો લાંબા સમય સુધી ઊભા રહેવાનું કે એક જ સ્થિતિમાં બેસવાનું ટાળો. સમયાંતરે આસપાસ ખસેડો અને ખેંચો. ફોર. કમ્પ્રેશન સ્ટોકિંગ્સ: લો બ્લડ પ્રેશરની સંભાવના ધરાવતી વ્યક્તિઓ માટે, કમ્પ્રેશન સ્ટોકિંગ્સ પહેરવાથી રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ મળે છે અને પગમાં